જ્યારે અભિનેત્રીઓ તેમના લગ્નના પાનેતર પર કરોડોનો ખર્ચ કરતા પહેલા થોડું પણ વિચારતી નથી, ત્યારે સ્ટાર વરરાજા પણ મિત્રો અને ખાસ લોકોના રિસેપ્શનમાં એક ચપટીમાં લાખો કરોડોનો ખર્ચ કરી નાખે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ ના લગ્ન છે. ત્રેવીસ જાન્યુઆરીના રોજ અથિયા-રાહુલે હંમેશા માટે એકબીજાના થઇ ગયા છે. લગ્ન બાદ એ સુંદર તસવીરો શેર કરી છે. આવો જાણીએ દસ હજાર કલાકમાં બનેલા આ લહે લહેંગામાં શું છે. કોણે તૈયાર કર્યું નું પાનેતર અથિયા અને રાહુલની જોડી લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને કપલે મેચિંગ વેડિંગ કોસ્ચ્યુમ પેહેર્યા હતા. આથિયા અને રાહુલ પરથી કોઈ નજર હટાવી શક્યું નહીં. તમને જણાવી દઈએ કે એ તેના લગ્નમાં હળવા ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો, જેને ફેશન ડિઝાઇનર અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ લહેંગાની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેને ટ્રેડિશનલ લુકથી થોડા અલગ બનાવવામાં આવ્યો હતો. આ લહેંગો પેસ્ટલ કલરનો હતો અને તેના પર ચિકંકરી વર્ક, જાલી અને જરદોઝી વર્ક હતું. એક પોપ્યુલર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં અનામિકે અથિયાના વેડિંગ લહેંગાની ખાસિયતો જણાવી છે. તમને જણાવી દઈએ કે, આ આખો લહેંગો કોઈ પણ મશીન વગર હાથ વડે બનાવવામાં આવ્યો હતો. ઘૂંઘટ અને દુપટ્ટા રેશમની ઓર્ગેનાઝાથી ઢંકાયેલો છે. આ લહેંગામાં કેનકેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેનો ઉપયોગ લહેંગાને પહોળો બનાવવા માટે થાય છે. બીજી તરફ વરરાજા કે એલ રાહુલની શેરવાની ના લહેંગાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. એ લગ્નમાં પહેરી હતી કુંદન જ્વેલરી પાનેતરની સાથે અથિયાએ તેના લગ્નના ઘરેણાંના પણ સંપૂર્ણ કાળજી લીધી હતી. તેના વેડિંગ લુકને રિચ લુક આપવા માટે, આથિયાએ પોલ્કી નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ, મા ટીકા, મેચિંગ બંગડીઓ અને જ્વેલરીમાં કલેરીથી પોતાને શણગારી હતી.